એક વાર ઘરે આરામ કરતો હતો અને મોબાઈલ ની રિંગ વાગી ટેબલ પર થી મોબાઈલ લઈ ને જોયું તો અજ્ઞાત નંબર હતો મેં ફોન પિક કર્યો સામે થી મધુર અવાજ આવ્યો કેન આઈ સ્પીક ટુ વિજય ? અવાજ થોડા પરિચિત લાગ્યો મેં કહ્યું હા બોલ હું વિજય તમે કોણ ? તેણે કહ્યું હું રોલ નંબ નમ્બર ઓગણોસિત્તેર. અવાજ પરિચિત લાગ્યો અને રોલ નમ્બર ઓગણો સિત્તેર પર થી યાદ આવ્યું કે મારા સ્કૂલ માં સાથે ભણતી એક છોકરી રશ્મિનો અવાજ હતો, જે સ્કૂલ સમયમાં ઘણા પ્રયત્નો છતાં મને ભાવ આપતી નહોતી. તરત જ મેં રસોડામાં નજર નાખી તો પત્ની રોટલા વણવામાં વ્યસ્ત હતી, એટલે હું તરત જ ઘરમાંથી બહાર બાલ્કની માં પહોંચી ગયો, ધબકારા વધી ગયા, શ્વાસ પણ થંભી ગયો. શું બોલવું શબ્દ મળતા નહોતા. હું ભૂતકાળમાં સરી ગયો કે જેના માટે હું જીવ આપવા તૈયાર હતો તે ત્યારે ભાવ ખાતી હતી અને આજે સામેથી ફોન કર્યો એને મારી શું ગરજ પડી હશે એવી કલ્પના માત્ર થી મન ખીલી ઉઠ્યું. શું બોલવું કંઇક સમજણ પડતી નહતી પણ એ સામેથી બોલી: ક્યાં છે યાર, કેટલા વરસ થઈ ગયા તને જોયા, ત્યારે નમ્બર પણ નહતો મારી પાસે. કાલે જ વિપુલ મળ્યો એની પાસેથી તારો નમ્બર લીધો અને તને ફોન કર્યો. તેનો અવાજ સાંભળીને એવું લાગતું હતું કે બસ સાંભળ્યા જ કરું. અચાનક તેને બીજો એક મોટો ભટાકો કરી નાખ્યો, મારે મળવું છે તને ક્યારે ટાઈમ છે બોલ! મનમાં થયું કે તને મળવા માટે ક્યારેય નપણ તૈયાર જ છુ, પણ પછી નોકરીનો ખ્યાલ આવ્યો અને કીધું રવિવારે ફ્રી છુ તો મળીએ. અને પૂછ્યું કે કયા મળીશું પછી જાતે જ બિન્ધાસ્ટ રીતે કીધું એક કામ કર તું મારા ઘરે આવી જજે. મને તો સ્વર્ગનો અનુભવ થવા લાગ્યો ત્યાં ફરી એ બોલી કોઈ સારી જગ્યાએ મળીયે એકાંતમાં જ્યાં શાંતિથી વાત કરી શકાય. મેં કહ્યું મને કોઈ આવી જગ્યા ખબર નથી તું બોલ. પછી તેણે શહેર ની એક મોટી શાનદાર હોટેલનું નામ લીધું અને રવિવારે ત્યાં સાંજે પાંચ વાગ્યે મળીએ એવું નક્કી થયું. રવિવારે ને હજી ત્રણ દિવસ બાકી હતા જે ત્રણ યુગ દૂર હોય એમ લાગતું હતું. હું તો તને મળવા જવાનું છે એમ કરી નવું મોદી જેકેટ લાયો, સલૂન માં જઈ ફેસિયલ કરાવ્યું, બાળ ડાઢી કઢાવી ની નાખ્યા, નવું પરફ્યુમ લઈ આવ્યો આ બધું જોઈ પત્ની એ પૂછ્યું શું વાત છે શેની તૈયારી ચાલુ છે? રવિવારે ત્લાઇન્ટ સાથે મિટિંગ છે એવું ગપ્પુ મારી દીધું. પત્ની